અમારી પાસે પહેલાથી ઘણા સાધનો છે તે જીવંત સોફ્ટવેરને વાસ્તવિકતા બનાવશે. અમે સાથે ચોક્કસપણે જનીનોને સંપાદિત કરી આપણે આનુવંશિક એક સમયે એક આધાર આપણે કાર્યકારી પણ બનાવી શકીએ છીએ. ડીએનએ બહાર કૃત્રિમ સર્કિટ્સ. પરંતુ કેવી રીતે અને ક્યારે બહાર નીકળવું આ સાધનો ચલાવવા માટે હજી પણ અજમાયશ અને ભૂલની પ્રક્રિયા છે. તેને કુશળતાની જરૂર છે, વિશેષતા વર્ષો અને પ્રાયોગિક પ્રોટોકોલ શોધવા માટે મુશ્કેલ છે. બધા ઘણી વાર, પુનરુત્પાદન કરવું મુશ્કેલ. તમે જાણો છો, આપણું વલણ જીવનમાં ભાગોં પર ઘ્યાન રાખવા, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ઉડાન જેવું છે, સમજાય નહીં. ફક્ત પીછાઓનો અભ્યાસ કરીને. પ્રોગ્રામિંગ બાયોલોજી નથી કમ્પ્યુટર પ્રોગ્રામ જેવુ સરળ અને પછી બાબતોને વધુ ખરાબ કરવા માટે, જીવંતપ્રણાલ મોટાભાગે સામ્યતા નથી. સિસ્ટમો માટે કે તમે, હું રોજ કાર્યક્રમ. એન્જિનિયર્ડ સિસ્ટમ્સથી વિપરીત, જીવંત પ્રણાલીઓ સ્વયં ઉત્પન્ન કરે છે, તેઓ સ્વ આયોજન, તેઓ પરમાણુ ભીંગડા પર કાર્ય કરે છે. અને આ પરમાણુ સ્તરના ક્રિયાપ્રતિક્રિયાઓ સામાન્ય રીતે મજબૂત તરફ દોરી જાય છે મેક્રોસ્કેલ આઉટપુટ. તેઓ સ્વસમારકામ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે ઘરગથ્થુ છોડ, જેમ કે એક બેઠો ઘરે તમારા પર કે તમે પાણીને ભૂલી જતા રહો. દરરોજ, તમારી ઉપેક્ષા હોવા છતાં, કે છોડ જાગે છે અને કેવી રીતે બહાર આકૃતિ તેના સંસાધનોની ફાળવણી કરવા. શું તે વધશે, પ્રકાશસંશ્લેષણ કરશે, બીજ ફૂલ પેદા, તે નિર્ણય લેવો પડશે સમગ્ર જીવતંત્રના પરંતુ છોડમાં મગજ હોતું નથી કે બધા બહાર આકૃતિ તે કરવું પડશે તેના પાંદડા પર કોષો સાથે. તેઓએ પર્યાવરણને પ્રતિક્રિયા આપવી પડશે અને નિર્ણયો લે છે જે આખા છોડને અસર કરે છે. તેથી કોઈક કોઈ કાર્યક્રમ હોવો જ જોઇએ આ કોષોની અંદર દોડતા, એક પ્રોગ્રામ જેનો જવાબ છે ઇનપુટ સંકેતો અને સંકેતો અને તે કોષ શું કરશે તે આકાર આપે છે. અને તે પછી તે પ્રોગ્રામો ચલાવવા જ જોઇએ વિતરિત રીતે વ્યક્તિગત કોષો તરફ, જેથી તેઓ સંકલન કરી શકે, તે છોડ વિકસે છે અને ખીલી શકે છે. જો આપણે સમજી શક્યા હોત જૈવિક કાર્યક્રમો, જો આપણે સમજી શક્યા હોત જૈવિક ગણતરી, આપણી ક્ષમતામાં પરવર્તન લાવશે કેવી રીતે, કૅમ સમજવું ?કોષો જે કરે છે તે કરે છે. કારણ કે, જો આપણે આ પ્રોગ્રામોને સમજીએ છીએ, જ્યારે વસ્તુઓ ખોટી પડે તેમને ડિબગ કરી શકીએ. અને મેં આ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કેટલાક તેજસ્વી સહયોગીઓ સાથે માઈક્રોસોફ્ટ સંશોધન પર અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, જ્યાં અમે સાથે સમજવા માંગતા હતા જૈવિક કાર્યક્રમ એક અનોખા પ્રકારનાં કોષની અંદર દોડવું: એક ગર્ભ સ્ટેમ સેલ. આ